અને લોકોએ રાનુંની તુલના લતા મંગેશર સાથે કરી હતી. રાનુ તો સૌથી પહેલા ગીત ઉપર કદાચ બે પાઉન્ટ પાંચ મિલિયન વ્યુ આવ્યા હતા અને અડતાલીસ હજાર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. હજારો લોકોએ તેની ઉપર કમેન્ટ કરી પણ કરી હતી. અત્યાર સુધીમાં આ વીડિયો લાખો વખત શેર કરવામાં આવી ચૂક્યો છે. આ વીડિયો ઇન્ટરનેટ ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. જણાવી દઈએ કે,તાજેતરમાં સોની ટીવી પર આવવા વાળા સીંગ સિંગ સીંગરિંગ રિયાલિટી શો 'સુપરસ્ટાર સિંગર'માં ખાસ મહેમાન બનીને આવી હતી. તે દરમ્યાન જય ભાનુશાલીએ રાનુંને પૂછ્યું હતું કે, તમે રેલ્વે સ્ટેશન પર આવું કેમ ગાઇ રહ્યા હતા. તે સમયે રાનું એ હસીને કહ્યું હતું કે, હું રેલવે સ્ટેશન પર એટલા માટે ગઈ હતી કારણ કે મારી પાસે રહેવા માટે ઘર નથી અને હું ગીત ગાય ને મારું પેટ ભરતી હતી કોઈ બિસ્કીટ આપી જતું તો પછી કોઈ થોડા પૈસા આપી જતું હતું. હવે રાનુંને ઘણા બધા મશહૂર શો તરફથી ઓફર મળી રહી છે અને તેની સ્ટાઈલમાં પણ આશ્રયજનક પરિવર્તન જોવા મળી રહયું છે. આ ઉપરાંત રાનુંના આ ગીત દ્વારા છેલ્લા દસ વરતથી સંપર્કમાં ન રહેલી દીકરી પણ તેને મળવા આવી હતી. આ અંગે રાનું એ કહ્યુ કે,આ મારુ બીજું જીવન છે અને હું તને ખુબજ સારો બનાવવાની કોશિશ કરૂં છું. લતા મંગેશકરનું ગીત ગાયને ફેમસ થઈ હતી આ વૃદ્ધ મહિલા. તમે સામાન્ય લોકો સાથે છેતરપિંડીની વાતો તો સાંભળી જ હશે, પરંતુ હવે ઠગ મોટી હસ્તીઓના એકાઉન્ટ પર પણ નજર રાખી રહ્યા છે. સામે આવી રહેલા સમાચાર મુજબ મહેન્દ્ર સિંહ ધોની, આલિયા ભટ્ટ, સચિન તેંડુલકર, શિપ્લા શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સના નામ પર નકલી ક્રેડિટ કાર્ડનો પર્દાફાશ થયોહ છે. છેતરપિંડી કરનારાઓના એક જૂથે કંઠિત રીતે આ હસ્તીઓના નામ પર તેમના પાન કાર્ડની વિગતોનો ઉપયોગ કરીને નકલી ક્રેડિટ કાર્ડ બનાવ્યા હતા. બોલિવૂડ અભિનેતાઓ અને ક્રિકેટરોના તેમના ઓળખ નંબર પરથી વિગતો મેળવી અને પૂણે સ્થિત ફિનટેક ટાસ્કઅપ 'વન કાર્ડ' પાસેથી તેમના નામે બનાવેલા ક્રેડિટ કાર્ડ મેળવ્યા.